ગુજરાત વિદ્યાપીઠમાં તમારી પ્રાથમિક્તા શું છે? મેં તેમની આંતરિક વ્યવસ્થા ક્યારે જોઈ નથી. હું વિદ્યાપીઠની કાર્યપ્રણાલી સિખીશ. હું ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સાથે બેસીશ અને સમજીશ કે ગાંધીજીએ કયા ઉદેશ્ય સાથે સંસ્થાની સ્થાપના કરી હતી. હું એ ઉદેશ્યો અને ટ્રસ્ટીઓના સહયોગથી આગળ વધીશ. ગુજરાતના રાજ્યપાલનું પદ સંભાળ્યું ત્યારથી તમે રાજનીતિક મુદ્દાઓથી દૂર રહ્યા છો હું ક્યારે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો રહ્યો નથી. મારું મિશન શિક્ષા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, યુવા પેઠીમાં યોગ પ્રાણાયામ કરાવવું અને ગ્રામીણ ક્ષેત્રોમાં એક વ્યસન મુક્ત સમાજ બનાવવો. હું વડાપ્રધાનના બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત અભિયાનના મિશન સાથે પણ જોડાયેલો છું. પરંતુ કોઈપણ રાજનીતિક દળમાં સામેલ થવા કે કોઈ રાજકીય મંચનો ઉપયોગ કરવાની ક્યારે મારી ઈચ્છા ન્હોતી. આ ક્યારેય મારી ઇચ્છા અને મારી રુચી રહી નથી. મને જે જવાબદારી આપવામાં આવી છે એ સૌભાગ્યથી બંધારણીય છે. આનું રાજનીતિથી કોઈ લેવા-દેવા નથી. હું ગુજરાતના રાજભવનમાં રહું છું ત્યારે મેં એ જનસેવા અંગે વિચાર્યું છે જ્યારે જેની મેં શપથ લીધી હતી. મેં હિમાચલ પ્રદેશમાં પણ આવું જ કર્યું હતું. મેં વિશ્વવિદ્યાલયની છાત્રાલયોમાં પણ જતો હતો. તેમના મુદ્દાઓનું પણ સમાધાન કરતો હતો. હું મારી કારમાં એક પાવડો અને તગારું રાખું છું. દર મહિને હું સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરું છું. હું પોતાને રાજકીય વિવાદોથી દૂર રાખું છું. તમે પ્રાકૃતિક ખેતી ક્યારે અને કેવી રીતે શરૂ કરી? આ કર્મચારીએ આ કીટનાશકને પીધું કે ખાધું નથી માત્ર શ્વાસમાં લેવાથી તેના જીવ પર ખતરો ઊભો થયો હતો. તે બચી ગયો પરંતુ આનાથી મારા મન પર એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો. તો મારા ગુરુકુળના લગભગ બાળકોનું શું થશે જે આ ખેતમાં ઉગેલા ઘઉં, ચોખા, દાળ અને શાકભાજી ખાય છે. આ ઝેર તેમના શરીરમાં જવું ગુનો છે. ત્યારથી જ મેં આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરું કર્યું હતું. મેં કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખાસ કરીને કુરુક્ષેત્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યો હતો. મેં કેવીકેના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. હરિઓમનો સંપર્ક કર્યો અને તેમને આ ઝેરી ખેતીના વિકલ્પ અંગે પૂછ્યું હતું. તેમણે મને જૈવિક ખેતી અંગે જણાવ્યું હતું. મારી પાસે નિષ્ણાંતો મોકલ્યા અને તેમની મદદથી અમે ખેતરમાં ઉપયોગમાં આવનારા વર્મીકમ્પોસ્ટ માટે જગ્યા બનાવી. જોકે, આમ કરવાથી ખેતરમાં વધારાનું ખડ ઉઘી જશે અને પહેલા વર્ષે અમે કંઈ ન મળ્યું કારણ કે આખા પાકને કીડાઓ અને ઇયળો ખાઈ ગયા હતા. મેં પાંચ એકર જમીન ઉપર આ પ્રયોગ કર્યો હતો. મેં વધારે સંશોધન કર્યું અને જાણ્યું કે છેલ્લા